વરુણ ધવનનું ઘર તેમના વ્યક્તિત્વ જેવુંછેમિનિમલિસ્ટિક અને જીવંત. અભિનેતા એક બબલી અભિનેતા તરીકે સામે આવી શકે છેજો કે, તે એક વિચારક અને ખૂબશરમાળ વ્યક્તિ છે, જે તેના મિત્ર અને સહ-અભિનેત્રી આલિયા ભટ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. વરુણ ધવન ઈન્ડસ્ટ્રીની સૌથી પસંદીદા હસ્તીઓમાંથી એક છે. ઉજ્જવળ અને તેજીમય અભિનય કારકિર્દી ઉપરાંત, વરુણ ધવન પાસે સપનાના શહેર, મુંબઈમાં એક આકર્ષક એપાર્ટમેન્ટ પણ છે. થોડા વર્ષો પહેલા, અભિનેતા તેના માતા-પિતાના ઘરેથી જુહુમાં તેના નવા એપાર્ટમેન્ટમાં રહેવા ગયો હતો, જે તેની માતા કરુણા ધવને ડિઝાઇન કર્યો હતો. ઠીક છે, આજે અમે તમને વરુણ ધવન અને નતાશા દલાલના ઘરની અંદર લઈ જઈશું, જે જુહુની બાયલેનમાં આવેલું એક અદભૂત એપાર્ટમેન્ટ છે. તમારી જિજ્ઞાસાને શાંત કરવામાં અને તમનેસેલેબ્સ કેવી રીતે રહે છે તે બતાવવામાં મદદ કરવા માટે તેમના ઑફ-રીલ જીવન પર પડદા દ્વારા એક નજર. તેમનું ખૂબસૂરત ઘર વિશાળ રૂમ, ફિટનેસ કોર્નર, વૉક-ઇન કબાટ અને ઘણું બધું વિશે છે. ચાલો વરુણ ધવનના ઘર પર એક નજર કરીએ જે વૈભવી અને ન્યૂનતમ ડિઝાઇન તત્વોને એકસાથે લાવે છે. વરુણ ધવન હાઉસ એડ્રેસ વરુણ ધવન મુંબઈમાં જુહુ પાસેના એપાર્ટમેન્ટમાં રહે છે. અભિનેતા માં તેના ઘરમાં રહેવા ગયો, જે તેની પ્રિય માતા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. ઘર મુંબઈના એક પોશ વિસ્તારમાં આવેલું છે. અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાનસન્ની દેઓલ જેવા ઘણા ટોચના બોલીવુડ કલાકારોવિસ્તારમાં તેમના ઘરો ધરાવે છે. મુંબઈ જુહુમાં વરુણ ધવન હાઉસ અહીં જુહુ મુંબઈમાં વરુણ ધવનના ઘરની ઝડપી ફોટો ટૂર છે. ન્યૂનતમ અને જીવંતછે કે આપણે તેનું વર્ણન કેવી રીતે કરીશું. વરુણ ધવન હાઉસની વિડિયો ટૂર વરુણ ધવનના ઘરમાં સુસજ્જ વ્યાયામશાળા અને ઉત્કૃષ્ટ આંતરિક સાથે બહુવિધ જગ્યા ધરાવતા બેડરૂમ સાથેનો એક સુશોભિત રહેવાનો વિસ્તાર છે. વરુણ ધવને તેના મિત્રો અને સંબંધીઓ માટે હૂંફાળું હાઉસવોર્મિંગ પાર્ટી પણ આપી હતી જ્યારે તે તેના નવા ઘરમાં ગયો હતો. ડેવિડ ધવનના બેસ્ટ ફ્રેન્ડ અભિનેતા અનુપમ ખેરે પણ પાર્ટીમાં હાજરી આપી અને ઈન્સ્ટાગ્રામ પર વરુણ ધવનના ઘરની હાઉસ ટૂર આપી. અનુપમ ખેર વરુણ ધવનના ઘરની અંદરની મુલાકાત આપે છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે વરુણ ધવનનું ઘર ઈલેક્ટ્રિક લક્ઝરી ટચ સાથે ડિઝાઈન કરવામાં આવ્યું છે. તેમાં ચામડાની ખુરશીઓ